કોરોનાથી સાજા થવાના દરમાં દિલ્હી નેવ્યાંથી પોઈન્ટ શૂન્ય સાત ટકા સાથે ટોચનાં સ્થાને છે આ પ્રસંગે પ્રધાનમંત્રી બે ટપાલ ટિકિટોનું વિમોચન કરશે ત્રીસ નેશનલ બાંગ્લાદેશ વંદે ભારત મિશનના ચોથા તબક્કામાં બાંગ્લાદેશમાં અટવાયેલા એક સો અઠ્ઠાવન ભારતીયો એર ઈન્ડિયાના વિમાન દ્વારા દિલ્હી જવા રવાના થયા છે આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે એક જ દિવસમાં કોરોનાના પંચાવન હજાર ઇઠ્યોતેર નવા પોઝીટીવ કેસ નોંધાતા દેશમાં કોરોના સંક્રમિત કેસનો આંકડો વધીને સોળ લાખ અડત્રીસ હજાર આઠ સો સિત્તેર થયો છે રશિયાના અધ્યક્ષ પદે વીડિયો કોન્ફરન્સ માધ્યમવળે યોજાયેલી બ્રિક્સ દેશોના પર્યાવરણ મંત્રીઓની છઠ્ઠી બેઠકમાં તેઓ બોલી રહ્યા હતા ઈ કીટની ઉપલબ્ધતા પ્રાપ્ત કરવામાં મહત્વની ભૂમિકા રહી છે નવ તા ન્યાયતંત્રની કચેરીઓ પટનાની વડી અદાલતની માર્ગદર્શિકા મુજબ કાર્ય કરશે તેમણે જળ સંર્વધનના ભાગરૂપે ઓછો વપરાશ જળને શુદ્ધ કરીને ફરીથી તેનો ઉપયોગ ઝુંબેશ ઉપાડવાની જરૂર ઉપર ભાર મુક્યો હતો તેમ જણાવ્યું હતું વિવિધ બૂથની મુલાકાત વેળાએ મોબાઇલ અંદર ન લઇ જવા રેમ્પ વધારવા તેર જગ્યાએ દિવ્યાંગો માટે વ્હીલચેરની સુવિધા ઊભી કરવા તેમજ મતદારોને સરળતાથી પીવાનું પાણી મળી રહે તે સહિતનાં સૂચનો કર્યા હતાં વિરલ રાણા મતદાર યાદી ચુટણી પંચ હવ મતદાર યાદીને આખરી ઓપ આપી રહ્યો છે પ્રધાનમંત્રીએ ચંદ્રક જીતનાર ખેલાડીઓના કોચ તથા પરિવારજનોને પણ અભિનંદન પાઠવ્યા હતા આજ સાજથી નવા નામો મતદાર યાદીમાં નોંધાવી શકાશે નહીં તેમણે કહ્યું હતું કે ઓલિમ્પિક રમતોત્સવમાં ભાગ લેનાર દરેક ખેલાડીની સફળતા ખેલ ક્ષેત્રમાં અન્ય ખેલાડીઓને આગળ આવવાની પ્રેરણા આપશે ચૂંટણી કાર્યાલયે રાજકીય પક્ષનો એક જ ધ્વજ અને પક્ષના ચિન્હ ફોટોગ્રાફ સાથેનું એક જ બેનર લગાવી શકાશે ટ્વીટર આપેલા સંદેશામાં તેમણે જણાવ્યું છે કે શાળાના વિદ્યાર્થીઓ સહિત દરેક નાગરિકને આ મુદ્દે સંવેદનશીલ બનાવવાની જરૂર છે ઉપરાષ્ટ્રપતિ એમ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને અહીંના કિડાણા અંતરજાળ આદિપુર સુંદરપુરી વાવાઝોડા કેમ્પ વગેરે સંવેદનશીલ તથા સામાન્ય એવા બાસઠ બૂથની મુલાકાત લઇ ત્યાંની વ્યવસ્થાની ચકાસણી કરી હતી શ્રી નાયડુએ પાણીને મૂળભૂત માનવ અધિકાર ગણાવ્યો છે ત્યારબાદ આખરી મતદાર યાદી તૈયાર થશે આ જાહેરનામુ આગામી તા ટ્વીટર પરના અભિનંદન સંદેશોમાં તેમણે સમગ્ર દેશ તેમની આ સિદ્ધિથી ગર્વની લાગણી અનુભવે છે આ યાદોમાંથી કેન્દ્રોય ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડ દવારા ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે લોકો હવામાન કચેરીની મુલાકાત લઈ તેની તમામ કામગીરી નિહાળી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે ખાનગી સ્થળે કોઈ પણ પ્રકારના દબાણ દ્વારા ધાર્મિક સ્થળોએ કે તેના પરીસરમાં કોઈપણ શૈક્ષણિક સંસ્થા કે દવાખાનાની આજ બાજુમાં પણ ચૂંટણી કાર્યાલય ખોલી નહીં શકાય વેકેયા નાયડુએ બધા નાગરિકોને સલામત પાણી પૂરું પાડવાના ધ્યેયને હાંસલ કરવા સાથે મળીને કામ કરવાના શપથ લેવા નાગરિકોને અનુરોધ કર્યો છે નવા મતદારો માટે મતદાર યાદી માં નામ નોંધાવવાનો આજે છેલ્લો દિવસ હતો અત્રે ઉલ્લેખનીય છે કે ભુજનો હવામાન કચેરીમાં પશ્ચિમ ભારતનું એક માત્ર ડોપલર વેધર રડાર કાર્યરત છે વિરલ રાણા વિશ્વ મોસમ દિવસ ઉજવણો આવતીકાલ તારીખ તેવીસ મી માર્ચ શનિવારના રોજ વિશ્વ મોસમ દિવસની ઉજવણીને અનુલક્ષી ને જિલ્લા મથક ભુજ સ્થિત હવામાન કચેરીને જાહેર જનતાનો મુલાકાત માટે ખુલ્લી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે।